પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ હાઉસ કિંમત, સરનામું, અંદરના ફોટા શું તમે જાણવા ઉત્સુક છો કે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ ક્યાં રહે છે? સેલિબ્રિટી કપલના અમેરિકા અને મુંબઈમાં પણ ઘર છે. અમેરિકા અને મુંબઈમાં પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના ઘરની ફોટો ગેલેરીનું અન્વેષણ કરો અને તેમના ઘરની કિંમત, ઘરની અંદરનું દૃશ્ય અને વધુની વિગતો જાણો. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ મનોરંજન ઉદ્યોગમાં સેલિબ્રિટી યુગલો માટે સૌથી વધુ પ્રિય અને સર્ચ કરવામાં આવે છે. ભારતીય સૌંદર્ય રાણી વૈશ્વિક સ્ટાર બની ગઈ પ્રિયંકા ચોપરા અને લોકપ્રિય પોપ સ્ટાર બનેલા અભિનેતા નિક જોનાસે તાજેતરમાં તેમના ચાહકોને આશ્ચર્યજનક સમાચાર સાથે આશ્ચર્યચકિત કર્યા કારણ કે તેઓએ સરોગસી દ્વારા તેમના પ્રથમ બાળકનું સ્વાગત કર્યું. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસનું ઘર તેમની નવજાત પુત્રીને ઉછેરવા માટે યોગ્ય ઘર છે. અમે તમને પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના ઘરની વર્ચ્યુઅલ ટૂર પર લઈ જઈએ છીએ, મુંબઈમાં પ્રિયંકા ચોપરાના ઘરની તમામ તસવીરો સ્પ્લેશ કરીએ છીએ અને તમને પ્રિયંકા ચોપરાની નેટવર્થ, પ્રિયંકા ચોપરાની સંપત્તિ વિશેની તમામ રસાળ વિગતો આપીએ છીએ. સરનામું અને ઘણું બધું. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં લગ્ન કર્યા હતા. તેમના લગ્નના લગભગ એક વર્ષ પછી બંનેએ એલએમાં તેમના સપનાનું ઘર ખરીદ્યું. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની સ્નેઝી હવેલી એન્સિનો લોસ એન્જલસના ખૂબસૂરત ડુંગરાળ વિસ્તારમાં આવેલી છે. વોલ સ્ટ્રીટ જર્નલ દ્વારા અહેવાલ મુજબ, ચોરસ ફૂટની અદભૂત મેનોર સાત શયનખંડ અને અગિયાર બાથરૂમ સાથે આવે છે. હવેલીમાં ઊંચી છત, વિશાળ બહારની જગ્યા, એક ભવ્ય અનંત પૂલ અને પહાડોના અદભૂત દૃશ્ય સાથે વિશાળ બેકયાર્ડ છે. પ્રિયંકા ચોપરા નિક જોનાસ એલએ હાઉસની કિંમત ઘરની સૌથી મોંઘી રિયલ એસ્ટેટ મિલકતો પૈકીની એક હોવાનું કહેવાય છે અને કેલિફોર્નિયાના એન્સિનોની પહાડીઓમાં આવેલી ભવ્ય મિલકત માટે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના ઘરે મિલિયનની વિક્રમજનક રકમનો છંટકાવ કર્યો હતો. તે કરોડ રૂપિયા છે. વિશ્વના ટોચના સૌથી મોંઘા મકાનો એલએમાં નિક જોનાસ અને પ્રિયંકા ચોપરાના ઘરની અંદર એક નજર નાખો. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ એલએ હોમલિવિંગ એરિયા સર્વોપરી ક્રીમ સોફા, નીચાણ વાળા કોફી ટેબલ, કાચની બારીઓ, હાથીદાંતના રંગના ફ્લોર અને હૂંફાળું વાતાવરણ માટે પથ્થરની દીવાલની સગડી પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લોસ એન્જલસના ઘરનું વર્ણન કરે છે.